થાપણ વીમા સુરક્ષા ધરાવતી બેંકો એકત્રીસ માર્ચ સુધીમાં થાપણ વીમા સુરક્ષા ધરાવતી રજિસ્ટર્ડ બેંકોની સંખ્યા બે હજાર સત્તાવીસ હતી. તેમાં એકસો ચાલીસ કોમર્શિયલ બેંકો અને એક હજાર આઠસો સિત્યાસી સહકારી બેંકોનો સમાવેશ થાય છે. કેટલી રકમ સુધીનો થાપણ વીમો મળે છે? ડીઆઈસીજીસી દ્વારા બચત થાપણ, ફિક્સ્ડ ડિપોઝિટ, કરંટ ડિપોઝિટ અને રિકરિંગ ડિપોઝિટ જેવી થાપણો પર વીમા સુરક્ષા આપવામાં આવે છે. તેમાં ઉપાર્જિત વ્યાજનો પણ સમાવેશ થાય છે. જો કોઈ બેંક નાદાર થાય અથવા ફડચામાં જાય, તો થાપણદારને મહત્તમ રૂપિયા પાંચ લાખ સુધીની થાપણ પર વીમા સુરક્ષા મળે છે. અગાઉ આ વીમા કવચની મર્યાદા માત્ર રૂપિયા એક લાખ હતી. જોકે, વર્ષ બે હજાર વીસમાં વીમાધારક બેંકોના થાપણદારો માટે આ મર્યાદા વધારીને રૂપિયા પાંચ લાખ કરવામાં આવી હતી. સામાન્ય ચોમાસાની શેરબજાર પર અસર દેશના અર્થતંત્ર માટે સારા સમાચાર એ છે કે આ વર્ષે ચોમાસું સામાન્ય રહેવાની ધારણા છે. ભારતીય હવામાન વિભાગ અનુસાર, જૂનના પ્રથમ સપ્તાહના અંત સુધીમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસું કેરળના દરિયાકાંઠે પહોંચવાની અને ત્યારબાદ સમયસર સમગ્ર દેશમાં ફેલાવાની અપેક્ષા છે. સારા ચોમાસાથી ખેતીને ફાયદો થશે અને ખેતી સાથે સંકળાયેલી કંપનીઓમાં માંગ વધવાની શક્યતા છે. સારી ખેતીથી ગ્રામીણ આવકમાં પણ વધારો થઈ શકે છે, જેના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં ખરીદશક્તિ વધવાની સંભાવના છે. વરસાદ અંગે શું આગાહી છે? હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ વર્ષે લાંબા ગાળાની સરેરાશના આશરે છાણું ટકા વરસાદ થવાની આગાહી છે. લાંબા ગાળાની સરેરાશની સરખામણીમાં છાણુંથી એકસો ચાર ટકા વરસાદને સામાન્ય ગણવામાં આવે છે. સામાન્ય અથવા સામાન્ય કરતાં વધુ ચોમાસું રહેવાની આશરે સડસઠ ટકા શક્યતા છે. જોકે, ચોમાસા દરમિયાન અલ નીનોની સ્થિતિ સર્જાવાનું જોખમ પણ રહેલું છે, જે વરસાદને અસર કરી શકે છે. સામાન્ય ચોમાસાથી કયા ઉદ્યોગોને ફાયદો થશે? જો દેશમાં ચોમાસું સામાન્ય રહે, તો ખેતીની પ્રવૃત્તિઓ વધવાથી બિયારણ, ખાતર, કૃષિ સાધનો અને પંપની માંગ વધી શકે છે. ગ્રામીણ આવક વધવાથી એફએમસીજી, ટુ-વ્હીલર અને કન્ઝ્યુમર ગુડ્સની માંગમાં પણ વધારો થઈ શકે છે. બ્રોકરેજ હાઉસ મોતીલાલ ઓસવાલના જણાવ્યા અનુસાર, ટુ-વ્હીલર, ઓટો, ગ્રામીણ ફાઇનાન્સિંગ, એગ્રોકેમિકલ અને કેટલીક પસંદગીની કંપનીઓને સારા ચોમાસાથી લાભ થઈ શકે છે.